ઉપરાંત, પીરોજમાં શાંતિ, આનંદ અને જીવનશક્તિનો અર્થ છે. રંગ સ્પષ્ટ વિચાર અને આરામને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે તમારા લિવિંગ રૂમ અથવા અન્ય કોઈ રૂમમાં નેવી-બ્લુ કલર સાથે તેનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તે રૂમને વધુ ઉત્સાહી અને રમતિયાળ બનાવો છો. કોન્ટ્રાસ્ટ અથવા વિશિષ્ટતા ઉમેરવા માટે, તમે થોડી હરિયાળી અથવા લાલ અથવા કોરલ કુશબ કુશન અથવા થ્રો ઉમેરી શકો છો. નેવી બ્લુ કલર કોમ્બિનેશન સાથે સની યલો પીળો અને નેવી-બ્લુ કલર કોમ્બિનેશન મજેદાર અને રસપ્રદ લાગે છે છબી સ્ત્રોત. પીળો એક છાંયો છે જે ઊર્જા, આનંદ અને જીવનશક્તિથી ભરપૂર છે. તે વસવાટ કરો છો ખંડ અથવા માં નિવેદન બનાવવા માટે યોગ્ય છે. તેથી, ત્વરિત પ્રશંસા મેળવવા માટે તમે તમારા લિવિંગ રૂમમાં પીળા અને નેવી-બ્લુ કલર કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકો છો. છબી દ્વારા પ્રેરણા મેળવો. એક લિવિંગ રૂમની દીવાલ નેવી-બ્લુ કલરથી પેઈન્ટ કરો અને તેની સામે પીળા ફર્નિચર જેવા કે સ્ટૂલ અથવા છાજલીઓ ગોઠવો. તમે દેખાવને પૂર્ણ કરવા માટે પીળા રંગની રગ પણ ખરીદી શકો છો. વધુમાં, તમે તમારા બેડરૂમ માટે સમાન વ્યૂહરચનાઓ ઉપયોગ કરી શકો છો. તમે બેડરૂમની એક્સેન્ટ દિવાલને નેવી-બ્લુ કલરથી પેઇન્ટ કરી શકો છો અને બેડ પર પીળા કુશન ઉમેરી શકો છો. છબીઓ સાથે તમારા ઘર માટે ટોચની ગ્લાસ નેમ પ્લેટ ડિઝાઇન, છબીઓ સાથે તમારા ઘરના પ્રવેશ માટે ગ્રેનાઈટ નેમ પ્લેટ ડિઝાઇન, પ્રેરણા માટેની છબીઓ સાથે તમારા ઘર માટે ફ્લાવર પિક્ચર આઇડિયા, લવલી ઈમોજ્ ઈમેજીસ સાથે ગાર્ડન લેન્ડસ્કેપ ડીઝાઈન આઈડિયાઝ, તમારા ઘર માટે ભારતીય વેડિંગ થીમ ડેકોર આઈડિયાઝ અને મેડ ઇન હેવન લેવિશ થીમ્સ, વાસ્તુ હોમ ડેકોરશાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુખી ઘર માટે વાસ્તુ ટિપ્સ, વેડિંગ સ્ટેજ ડેકોરેશન આઈડિયાઝ, બેડરૂમની દિવાલો માટે જાંબલી બે રંગનું મિશ્રણઇમેજ ગેલેરી સાથે ડિઝાઇન પ્રેરણા,નેવી-બ્લુ કલર અને ડાર્ક ગ્રેનો જાદુ ડાર્ક ગ્રે અને નેવી-બ્લુ કલર કોમ્બિનેશન ભવ્ય લાગે છે છબી સ્ત્રોત. ડાર્ક ગ્રે સુસંસ્કૃત લાગે છે, પછી ભલેને તમે કયા રૂમને ધ્યાનમાં રાખતા હોવ. ખાસ કરીને બેડરૂમમાં, ડાર્ક ગ્રે અને નેવી-બ્લુ કલર કોમ્બિનેશન અજાયબીઓ કરી શકે છે. સંયોજન સાથે, તમારો રૂમ બોલ્ડ અને અનપેક્ષિત દેખાશે. તેની શાંત અસર પણ પડશે. પરંતુ ખાતરી કરો કે તમે ફ્લોરની સાથે ફર્નિચરને શક્ય તેટલું સફેદ રાખો. ડાર્ક શેડ્સને સારી રીતે સંતુલિત કરશો. રોયલ વાઇબ માટે ગોલ્ડ અને નેવી-બ્લુ કલર કોમ્બિનેશન રીગલ હોમ ડેકોર બનાવે છે છબી સ્ત્રોત. નેવી-બ્લુ અને ગોલ્ડ એક સાથે સુંદર રીતે જાય છે. નેવી-બ્લુ કલર હાઇલાઇટ કરવા માટે દિવાલો, ફર્નિચર અથવા ટ્રીમ્સ પર મેટાલિક ગોલ્ડ